ગુરૂવારની રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઉતરાણ બ્રિજ પર કારમાં આગ લાગે છે. જેમાં કારમાં સવા સવાર સિફ્તપૂર્વક નીચે ઉતરી જતા બચાવ થયો છે. શુક્રવારે સવારે અડાજણ વિસ્તારમાં આવેલા દીપા કોમ્પલેક્સ સામે વાનમાં આગ લાગી જાય છે. જેમાં કોઈ ઈજા જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગતાની સાથે જ ઘટના સ્થળ ઉપર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. જેમાંથી કોઈ વ્યક્તિ દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડને જાણ થતાની સાથે જ ઘટના સ્થળ ઉપર પહોચીને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો છે. શોર્ટ સર્કિટ અને ગેસ લિકેઝથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે. જો કે આગમાં બળીને બન્ને બનાવમાં કાર ખાક થઈ ગઈ છે. આગ લાગ્યાની જાણ થતાં જ કારમાં સવાર નીચે ઉતરી ગયા હતાં. બાદમાં સ્પાર્કથી લાગેલી આગે સમગ્ર કારને ઝપેટમાં લઈ લીધી હતી. જેથી કારની જવાળા ઉંચે સુધી પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ પહેલા પણ બે દિવસ પહેલા જ સુરતના કાપોદ્રા પાસે ગાડીમાં આગની ઘટના બની હતી. કાપોદ્રા ઉતરાણ બ્રિજ પર ગુરુવારની રાત્રે એક ફોર વ્હીલ કારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જોજે આગ ની જાણ થતાં જ કાર ચાલક રોડ બાજુએ કાર પાર્ક કરી બહાર દોડી ગયો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કાર દિપક હરિયાણીની હોવાનું અને કાર નંબર એકવીસ હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ સુરતમાં આવેલ લિંયાબિત વિસ્તારના નારાયણ નગર પાસેના કોમ કોમર્શિયલ જગ્યામાં પાર્ક આઠ-દસ જેટલી ગાડીઓમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ બાદ ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ખુલ્લા પ્લોટમાં પોલીસ દ્વારા મુકાયેલી ગાડીઓમાં આગ લાગતાં આઠ જેટલા વાહનો બળીને ખાક થયા છે. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. જોકે, સદનસીબે કોઈ ઈજા જાન હાનિ નોંધાઈ નથી. સુરત: અડાજણ વિસ્તારમાં રસ્તા વચ્ચે અચાનક વાનમાં ભભૂકી ઉઠી આગ .